દિવેલા ના તબીબી ઉપયોગોને તેના વિવિધ ફાયદાકારક ગુણધર્મોને કારણે સદીઓથી ઓળખવામાં આવે છે. તબીબી એપ્લિકેશનમાં દિવેલા ના કેટલાક પોઈન્ટ-ટુ-પોઈન્ટ ફાયદાઓ અહીં છે: દિવેલામાં બળવાન બળતરા વિરોધી ગુણધર્મો છે, જે તેને સંવિધા, સાધાનો દુખાવો અને ઇજાઓ સાથે સંકળાયેલ બળતરા જેવી બળતરા પરિસ્થિતિઓની સારવારમાં ઉપયોગી બનાવે છે. તે સોજો ઘટાડવામાં, પીડા ઘટાડવામાં અને અસરગ્રસ્ત વિસ્તારોમાં હીલિંગને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. દિવેલાના બીજમાંથી કાઢવામાં આવેલું તેલ જ્યારે મૌખિક રીતે લેવામાં આવે ત્યારે કુદરતી રેચક તરીકે કામ કરે છે. તે આંતરડાની ગતિને ઉત્તેજિત કરે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. આ દિવેલાને પ્રસંગોપાત કબજિયાતનો અનુભવ કરતી વ્યક્તિઓ માટે અથવા આંતરડાના નિયમન માટે ટૂંકા ગાળાના ઉકેલ તરીકે ફાયદાકારક બનાવે છે. ઘા હીલિંગને પ્રોત્સાહન આપે છે: ઘાના ઉપચારમાં મદદ કરવા માટે પરંપરાગત રીતે દિવેલા તેલનો સ્થાનિક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે જે ચેપને રોકવામાં મદદ કરે છે અને હીલિંગ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે ટીશ્યુ રિપેરને પ્રોત્સાહન આપવા માટે નાના કટ, બર્ન, ઘર્ષણ અને અલ્સ અલ્સર પર લાગુ કરી શકાય છે. ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને પોષણ આપે છે: દિવેલા તેલ ફેટી એસિડથી ભરપૂર છે અને તેમાં ઉત્કૃટ ઇમોલિયન્ટ ગુણો છે. તે ત્વચાને ભેજયુક્ત અને શોષણ આપી શકે છે, જે તેને શુષ્ક, બળતરા અથવા ક્ષતિગ્રસ્ત ત્વચાની સ્થિતિ માટે ફાયદાકારક બનાવે છે. તેનો ઉપયોગ ત્વચાની હાઇડ્રેશન અને ટેક્સચરને સુધારવા માટે સ્કિનકેર પ્રોડક્ટ્સના ફોર્મ્યુલેશનમાં પણ થઈ શકે છે. વાળ અને ખોપરી ઉપરની ચામડીના સ્વાસ્થ્યને ટેકો આપે છે: વાળના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે દિવેલા તેલને માથાની ચામડી અને વાળ પર ટોપિકલી લગાવી શકાય છે. તે ખોપરી ઉપરની ચામડીને મોઇશ્ચરાઇઝ કરે છે, ખોડો ઘટાડે છે અને વાળ તૂટતા અટકાવે છે. દિવેલા તેલ વાળાના વિકાસને ઉત્તેજીત કરવા માટે પણ માનવામાં આવે છે, જે તેને હેર કેર પ્રોડક્ટ્સમાં લોકપ્રિય ઘટક બનાવે છે. માસિક સ્રાવની અગવડતાને દૂર કરે છે: દિવેલાનો ઉપયોગ પરંપરાગત રીતે માસિક ખેંચાણ અને અગવડતાને દૂર કરવા માટે કરવામાં આવે છે. માસિક સ્રાવ દરમિયાન પેટના નીચેના ભાગમાં એરંડાના તેલનો ગરમ પેક લગાવવાથી સ્નાયુઓને આરામ આપવામાં, પીડા ઘટાડવામાં અને આરામની ભાવનાને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે. રોગપ્રતિકારક કાર્યને ટેકો આપે છે: દિવેલામાં એવા સંયોજનો છે જે રોગપ્રતિકારક તંત્રની પ્રવૃત્તિને વધારે છે. તે શરીરની કુદરતી સંરક્ષણ મિકેનિઝમ્સને વધારવામાં મદદ કરી શકે છે અને એકંદર રોગપ્રતિકારક કાર્યને ટેકો આપે છે, આમ સામાન્ય આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે. ત્વચા પર બળતરા વિરોધી અસરો: દિવેલા તેલ ત્વચાની સ્થિતિ જેમ કે ખરજવું, સૉરાયિસસ અને